આ પ્રદેશ કેદારનાથ ગ્લેશિયર અને મંદાકિની ગ્લેશિયર સહિત અનેક હિમનદીઓનું ઘર પણ છે. કેદારનાથની આજુબાજુની ખીણો હરિયાળી અને લીલીછમ છે અને તે વિવિધ પ્રકારના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું ઘર છે, જેમાં રોડોડેન્ડ્રોન, દેવદાર અને ઓકના વૃક્ષો અને પક્ષીઓ અને પ્રાણીઓની અનેક પ્રજાતિઓ છે. કેદારનાથ જ્યોતિર્લિંગની સુંદરતા આ પ્રદેશની સુંદરતા ખરેખર અદ્ભુત છે. બરફથી ઢંકાયેલા પર્વતો, સ્ફટિક-સ્પષ્ટ પ્રવાહો અને લીલી ખીણો એક અદભૂત લેન્ડસ્કેપ બનાવે છે જે આકર્ષક અને શાંતિપૂર્ણ બંને છે. આ પ્રદેશ તેના સ્વચ્છ વાદળી આકાશ અને તાજી પર્વતીય હવા માટે પણ જાણીતો છે, જે તેને શહેરના જીવનની ધમાલથી બચવા અને પ્રકૃતિ સાથે જોડાવા માંગતા લોકો માટે એક આદર્શ સ્થળ બનાવે છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને કેદારનાથ શિખરના પાયા પર સ્થિત છે. આ મંદિર પરંપરાગત ઉત્તર ભારતીય સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યું છે, અને તે મોટા, ભારે પથ્થરોથી બનેલું છે જે કોઈપણ સિમેન્ટ અથવા મોર્ટારના ઉપયોગ વિના એકબીજા સાથે જોડાયેલા છે. મંદિરને બાર જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે, જે ભગવાન શિવનું સૌથી પવિત્ર નિવાસસ્થાન છે. કેદારનાથ મંદિરનું મહત્વ ભગવાન શિવ સાથેના જોડાણમાં રહેલું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે કેદારનાથમાં તેમના ભક્તોને લિંગના રૂપમાં દેખાયા તે પહેલાં ધ્યાન કર્યું હતું, જે તેમની દૈવી ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે.